તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની આગેવાનીમાં માત્ર એક જ એઈમ્સ ની સ્થાપના કરવામાં આવી હતી. આમાંથી એક ગુજરાતના રાજકોટમાં પણ બની રહી છે. ટિકિટ મળવાથી ભાજપના કેટલાંક નારાજ ઉમેદવારોએ બળવો કર્યો છે અને અક્ષપ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. પાર્ટીના આવા બળવાખોર નેતાઓને પક્ષનું સભ્યપદ રદ કરવાની સીઆર પાટીલે ચીમકી આપી છે. બળવાખોર નેતા અપક્ષ ચૂંટણી લડશે તો સસ્પેન્ડ કરાશે ગુરુવારે અમદાવાદ ખાતે સીઆર પાટીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સમાં સીઆર પાટીલે કહ્યુ કે, વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી ટિકિટ ન મળવાને કારણે અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડનાર બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સુરતના મધુ શ્રીવાસ્તવ સહિત ઘણા નેતાઓએ ભાજપ પક્ષ તરફથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે. 'કાર્પેટ બોમ્બિંગ'થી ભાજપનો ચૂંટણી પ્રચાર આજથી શરૂ સીઆર પાટીલે વધુમાં માહિતી આપી કે પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારથી જ રાજ્યમાં ચૂંટણી વખતે 'કાર્પેટ બોમ્બિંગ'ની રણનીતિ હેઠળ પ્રચાર અભિયાન કરવામાં આવે છે. ગુજરાતમાં અઢાર નવેમ્બર, શુક્રવારના રોજથી ત્રણ દિવસ માટે ભાજપ પાર્ટી અને પક્ષના ઉમેદવારો તરફથી વિધિવત ચૂંટણી પ્રચારની શરૂઆત થશે. જેમાં ગુજરાતમાં વિવિધ પ્રદેશોમાં કેન્દ્રમાંથી આવેલા પંદર નેતાઓ કુલ છેતાલીસ બેઠકો પર ચૂંટણી સભાઓ યોજશે. તો રાજ્યના ચૌદ નેતાઓ આ દરમિયાન છત્રીસ બેઠકો પર ચૂંટણી સભા સંબોધશે. એક નેતા એક દિવસમાં ત્રણ જનસભા સંબોધશે. ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવનાર પંદર કેન્દ્રીય નેતાઓમાં જેપી નડ્ડી, નીતિન ગડકરી, નરેન્દ્રસિંહ તોમર, અનુરાગ ઠાકુર, શિવરાજ સિંહ ચૌહાણ, યોગી આદિત્યનાથ, દેવેન્દ્ર ફડણીસ જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ ત્રણ દિવસમાં 'કાર્પેટ બોમ્બિંગ' અભિયાન હેઠળ ગુજરાતમાં છત્રીસ બેઠકો ચૂંટણી પ્રચાર કરનાર રાજ્યના ચૌદ નેતાઓમાં સીઆર પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, વિજય રૂપાણી, નીતિન પટેલ, આરસી ફળદ્રુ, ગોરધન ઝડફિયાનું નામ છે. આ પણ વાંચોઃ જો કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઈને મારીશ – ભાજપના મધુ શ્રીવાસ્તવે આપી ધમકી એકસો બ્યાસી બેઠકો પર કાર્યકર્તાઓએ દાવો કર્યો હતો ભાજપના કાર્યકર્તાઓની નારાજગી મામલે સીઆર પાટીલે કહ્યુ કે, દરેકને ચૂંટણી લડવાની ટિકિટ આપવી શક્ય નથી.